બેડરૂમ માટે નવીનતમ ડિઝાઇન્સ એક ઉત્કૃષ્ટ દેખાવ માટે ડિઝાઇન્સ પ્લાસ્ટર ઓફ પેરિસ અથવા પીઓપી એક ઝડપી પ્લાસ્ટર છે જે પાણીમાં ભેળવવામાં આવે છે અને જરૂરિયાત મુજબ ડિઝાઇન બનાવવે છે અને તેને સૂકવવા દે છે. ઘરની સજાવટની દુનિયામાં તે એક નાનો સેટ સ્પ્રે છે. જો કે તેનો ઉપયોગ મોટાભાગે શયનખંડમાં ખોટી છત ડિઝાઇન કરવા માટે થાય છે, તેનો ઉપયોગ ઘણા ડિઝાઇન વિકલ્પો દિવાલ ડિઝાઇન ટુકડાઓ, ઉચ્ચાર દિવાલો અથવા વિશિષ્ટ વિગતવાર પેનલ્સ માટે થઈ શકે છે. પરંતુ જો તમે તમારા ઘરમાં પીઓપીનો વ્યાપકપણે ઉપયોગ કરવા માંગતા હોવ તો તમારે ડિઝાઇન અને ડેકોર પ્રોફેશનલ્સની સેવાઓનો ઉપયોગ કરવો આવશ્યક છે. બેડરૂમ માટે વિવિધ પીઓપી ડિઝાઇનમાં ઊંડા ઉતરતા પહેલા, જે જગ્યામાં પાત્ર અને લાવણ્ય ઉમેરે છે, ચાલો બેડરૂમ માટે પીઓપી ડિઝાઇન બનાવવાની પ્રક્રિયાની ચર્ચા કરીએ. બેડરૂમ માટે પીઓપી ડિઝાઇન બનાવવાની પ્રક્રિયા શું છે? ડિઝાઇન પ્લાસ્ટર ઑફ પેરિસથી બનેલી છે જેને સામાન્ય રીતે તરીકે ઓળખવામાં આવે છે. પીઓપી અર્ધ નિર્જલીકૃત જીપ્સમથી બનેલું છે. ડિઝાઇન માટે શ્રેષ્ઠ પસંદગી છે કારણ કે સામગ્રી હલકો અને ગરમી પ્રતિરોધક છે. પીઓપી ડિઝાઇન કેટલો સમય ચાલે છે? પીઓપી ડિઝાઇન બાહ્ય નુકસાન વિના વર્ષ સુધી ટકી શકે છે. જો વપરાયેલી સામગ્રી સારી હોય તો તમારે ડિઝાઇનની આયુષ્ય વિશે ચિંતા કરવાની જરૂર નથી. ડિઝાઇનના નવીનીકરણ માટે કોઈ જરૂરિયાત નથી. જો કે, તમે જાળવણી માટે કેટલીક ટીપ્સને અનુસરી શકો છો. ખાતરી કરો કે પીઓપી ડિઝાઇન પાણીના સંપર્કમાં આવે સાવરણી અથવા ડસ્ટર વડે ધૂળના સંચયને સાફ કરો જો પીઓપી ડિઝાઇન પર તેલ આધારિત પેઇન્ટનો ઉપયોગ કરવામાં આવે છે, તો પછી ભીના કપડાનો ઉપયોગ કરો. બેડરૂમ માટે ડિઝાઇન અહીં બેડરૂમ માટે સૌથી વધુ પસંદગીની ડિઝાઇન છે બેડરૂમ માટે સિલિંગ ડિઝાઇન. જેઓ કંટાળાજનક પીઓપી સીલિંગ ડિઝાઇન માટે જવા માંગતા નથી અને પ્રયોગ કરવા માંગતા નથી, તેમના માટે મૂળભૂત બાબતોને છોડી દો અને બેડરૂમ માટે ઝિગ ઝેગ પીઓપી ડિઝાઇન પસંદ કરો. બેડરૂમ માટે પીઓપી સરળ ડિઝાઇન માત્ર તેમાં વિઝ્યુઅલ આકર્ષણ નહીં ઉમેરશે પરંતુ તે તમારા બાકીના આંતરિક ભાગોથી પણ અલગ હશે. તમારી અંતિમ સૂચિ, ફોટા સાથે ભૂમધ્ય ઘર સજાવટના વિચારોમાં નવીનતમ ડિઝાઇન માટે બેડરૂમની દિવાલો માટે બે રંગનું સંયોજન.